વર્ષોથી આપણાં વડીલો કહે છે કે પૈસો એ તો હાથનો મેલ છે. લક્ષ્મી હંમેશા એક હાથમાંથી બીજા હાથમાં વહેતી રહે છે એટલે કે તે નદીની જેમ વહ્યા જ કરે છે. હવે તો સમગ્ર વિશ્વ પણ આ હકીકત સ્વીકારે છે. આપણા ગ્રંથોએ લક્ષ્મીને પૂજ્ય સ્થાન આપ્યું છે અને તેને સંગ્રહિત અથવા જાણવણી કરવા માટેના અનેક વિવરણો પણ આપ્યા છે. દિવાળીમાં ખાસ લક્ષ્મીપૂજન ધનતેરસના દિવસે કરવામાં આવે છે. આપણે આપણી મૂડી ને સમજી વિચારીને યોગ્ય દિશામાં વાપરવી જોઈએ. સ્વઉપયોગની સાથે સાથે સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક કાર્યો માટે પણ યથાશક્તિ યોગદાન આપણે આપવું જોઈએ. આપણા પુરાણોમાં પણ આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજકાલ પશ્ચિમી અનુકરણની આંધળી દોડમાં યુવાનોના ખર્ચા ખૂબ વધી ગયા છે. ટીવીમાં જે કોઈ નવી જાહેરાત જોઈ તે વસ્તુ લેવી જ એવી તેમની વિચારસરણી થઈ ગઈ છે. જાહેરાતની અસર હેઠળ નવા બુટ કે ચપ્પ્લ, કપડાં, હોટલ કે રેસ્ટોરાંમાં જમવાનું, કેક, આઇસ્ક્રીમ, પિત્ઝા, બર્ગર વગેરે જેવી જંકફૂડ ખાવાની ટેવ વધી રહી છે. આ બધા મોજશોખ કરવા માટે ખિસ્સુંં પણ ભરેલું હોવું જરૂરી બની ગયું છે કેમ કે ખાલી ખિસ્સે આ શક્ય નથી. આથી યુવાનો ગમે ત્યાંથી ગમે તેમ કરીને પોતાનું ખિસ્સુંં ભરવા પ્રયત્નશીલ રહે છે. છૂટા હાથે વપરાતો, ઉડાઉ હાથે ખર્ચાતો પૈસો અનેક અનર્થ નોતરે છે. આર્થિક પાયમાલીથી લઈને સમસ્ત સમાજની પાયમાલી. ઇતિહાસ એનો સાક્ષી છે. રોજબરોજ આપણી નજર સામે બનતા અને છાપામાં ઠલવાતા અનેક સમાચારો એના પુરવાઓ છે. હંમેશા આપણી આવક હોય તેટલો જ ખર્ચ કરવો જોઈએ. જેટલી ચાદર હોય તેટલા જ પગ ખેંચવા જોઈએ. જો વગર વિચાર્યે આપણે પૈસા વાપર્યા જ કરીએ તો કુબેરનો ધનભંડાર પણ ખૂટી જાય. એટલે કે ધન વિવેક બુદ્ધિથી વાપરવું જોઈએ. કોઈની દેખાદેખી કરીને કે પરાણે ખેંચાઈને કોઈ ખર્ચ કરવો જોઈએ નહીં. આ વાતને સમજવા ગોંડલના મહારાજા ભગવતસિંહજીનું ઉદાહરણ સમજવા જેવું છે. સંગ્રામસિંહજી રાજાને ત્યાં સન અઢાર સો પાંચથની ચોવીસ મી ઓક્ટોબરે ભગવતસિંહજીનો જન્મ થયો હતો. તેમણે ભારતના રજવાડાંઓને એક ઉત્તમ રાજાવીનું ઉહાદરણ પૂરું પાડ્યું હતું. એમની વહીવટ દક્ષતા, કરકસર એટલે અદભુત અર્થશાસ્ત્ર! ખૂબ વ્યવહારુ અને કોઈને પરેશાનીરૂપ ન બને એવી કરકસર! વિશ્વયુદ્ધ વખતે દેશનું મોટા ભાગનું લોખંડ યુદ્ધ સરંજામ માટે કારખાનાંઓમાં લઈ જવામાં આવતું હતું ત્યારે લોખંડની એટલી બધી તંગી ઊભી થઈ કે ઓફિસોમાં વપરાતી ટાંચણીઓની પણ સખત ખેંચ ઊભી થઈ. ટાંચણીઓના ભાવ પણ ખૂબ વળ્યા. ખૂબ મોંઘા ભાવે મળતી ટાંચણી પણ તદ્દન હલકી કક્ષાની અને થોડા જ સમયમાં કટાઈ જાય તેવી! સૌ લાચાર બનીને ચલાવી રહ્યા હતા. એવા સમયમાં ભગવતસિંહજી રાજ્યની કચેરીમાં